તે બીજા માટે એકદમ સરસ હોઈ શકે છે. વિચારો, જ્યારે કોઈ તમારી સાથે વાત કરશે ત્યારે લખાણ લો. આપણામાંના કેટલાકને તે અસંસ્કારી લાગે છે, બીજાઓને લાગે છે કે તે સામાન્ય છે. તેથી તે આધાર રાખે છે. તે બધું જોનારની નજરે છે અને પછી કે તેને તે અનાદર લાગે છે કે નહીં. આપણો એવો અર્થ નથી પણ કોઈને એવું લાગે છે પરંતુ જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે તેનું પરિણામ આવે છે. બાવીસ વર્ષ પહેલાં, મને યાદ છે હું હોસ્પિટલના રૂમમાં ગઈ હતી. હું દુખી હતી કારણકે મે મારા જોશીલા, મજબૂત, બળવાન પપ્પાને પથરીમાં ખરાબ દર્દીઓ વાળી હાલતમાં જોયા. અને મને ત્યારે આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ન હતો પરંતુ માત્ર થોડા વર્ષો પછી, હું ઘણી અસ્પષ્ટતા ની સાક્ષી અને અનુભવી બની કોલેજની બહાર મારી પ્રથમ નોકરી એક વરસ દરરોજ કામ પર મને મારા સહકાર્યકરો દ્વારા સાંભળવા મળ્યું કે, "તમે મૂર્ખ છો? આ રીતે ના થાય, " અને "તારાથી મને અભિપ્રાય નથી જોઈતો. " તેથી મે સામાન્ય વસ્તુ કરી હું શાંત રહી, અને કોલેજ પાછી ગઈ અને આ અસરોનો અભ્યાસ કર્યો. ત્યાં, હું ક્રિષ્ટીન પિઅર્સનને મળી તેમનો એક સિદ્ધાંત હતો, કે અસામાન્ય ક્રિયાઓ ઘણી મોટી સમસ્યા તરફ દોરી સકે છે. જેમ કે આક્રમકતા અને હિંસા. અમારું માનવું છે કે અતુલ્યતાની અસર નીચે સુધી રહે છે. તેથી અભ્યાસ શરૂ કર્યો, અને જે મળ્યું તે આંખ ખોલાવનારું હતું. અમે બિઝનેસ સ્કૂલના ભુતપૂર્વ વિધ્યાર્થીઓને સર્વે મોકલ્યો જે બધી જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતાં અમે તેમના અનુભવ પર થોડા વાક્યો લખવા કહ્યું જ્યાં અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોય, અનાદર અથવા સંવેદનહીન રીતે અને જવાબ આપવા માટે કેવી રીતે તેઓએ પ્રતિક્રિયા આપી. બીજી જે વસ્તુ બની હતી, આપણે આપણાં ક્ષેત્રના લોકો પાસેથી સાંભળવા મળ્યું કોકે કહ્યું, "લોકોને આની જાણ કરી રહ્યા છો, પણ કોઈ સાબિતી છે? શું લોકોની કામગીરી ખરેખર પીડિત છે? " મને પણ તે વિશે ઉત્સુકતા હતી. મે તેમની અનુભવ અકલ્પ્યતા તુલના અમીર એરેઝ સાથે કરી અનુભવ અકલ્પ્યતા તે માટે ન હતી. અને જે અમને મળ્યું જેને અનુભવ કર્યો તે ખરેખર ખુબજ ખરાબ કામ કરે છે. ઠીક છે તમે કહી શકો છો. "આ અર્થમાં છે. છેવટે, તે સામાન્ય છે કે તેમના સ્વભાવને અસર કરે છે. " પરંતુ જો તમે તેનો અનુભવ ન કર્યો હોય? અને તમે જોયું અથવા સંભાળ્યું જરૂર હોય? તમે સાક્ષી છો અમને આશ્ચર્ય થયું કે શું તેનાથી સાક્ષીઓને પણ અસર થાય છે. તેથી અમે અભ્યાસ હાથ ધર્યો જ્યાં